અકબર તે દિવસે બહુ ખુશમિજાજ હતો. તેણે રીંગણનો એક છોડો બતાવી કહ્યું; બિરબલ,રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે. મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારો છોડ છે. બિરબલ બોલ્યો; હા,હજૂર. તમારું માનવું બરાબર છે. તે બહુ જ સારી વનસ્પતિ છે. રીંગણના શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે. એટલે જ ભગવાને તેનૅ લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે. આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા. વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હતા અકબર રીંગણના છોડને જોઈને બોલ્યો; બિરબલ,આ છોડ સાવ નકામો છે. મને તેનો રંગ જરા ય ગમતો નથી. મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે. બિરબલ બોલ્યો; હા,હજૂર. તમે બિલકુલ બરાબર કહો છો. રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે. એટલે જ તેનું નામે "બેંગન" છે બેંગુન. એટલે કે ગૂણ વગરના તેનામાં કોઈ પૌષ્ટિક ગુણો હોતા નથી. અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો; બિરબલ,તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો? હું બોલું તેમ જ કેમ બોલે છે? થોડા દિવસ પહેલાં તો તુ એમ કહેતો હતો કે રીંગણ બહુ સારા છોડ છે. અને આજે કહે છે કે ખરાબ છોડ છે. આમ કેમ્? બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો; હા હજૂર,હું તમારો સેવક છું. તમે મારા માલિક છો. તમને ખુશ કરવા તે મારા ધર્મ છે. એમ તમને ખુશ રાખું તો તમે મારી કદર કરશો. રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી. રીંગણનો છોડ મારો માલિક નથી. અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયો. તેની નીડરતા,ચતુરાઈ અને હાજર જવાબીપણું જોઈ તેને આનંદ થયો. તેણે બિરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઈનામમાં આપ્યો. ઊંટની ડોક કદરુપી કેમ હોય છે? બિરબલની ચતુરાઈ અને ડહાપણથી અકબર બાદશાહ ખૂબ પ્રભાવિત થયો હતો. એટલે કે એક દિવસ તેણે બિરબલને ઘણી બધી ભેટ આપવાનું વચન આપ્યું. પરંતુ એવું બન્યું કે આ પછી ઘણો સમય પસાર થઈ ગયો અને અકબર ભેટ આપવાનું ભૂલી ગયો. બિરબલ ખૂબ નારાજ થઈ ગયો. તેને સમજાતું ન હતું કે શું કરવું? એક દિવસ અકબર અને બિરબલ યમુના નદીના કિનારે ફરતા હતા. ત્યાં તેમણે એક ઊંટ જોયું. અકબર બોલ્યો; બિરબલ, મને કહે કે ઊંટની ડોક કદરુપી કેમ હોય છે? બિરબલને થયું,રાજાને યાદ દેવડાવામાંનો આ સારો મોકો છે. તે બોલ્યો; નામદાર,કદાચ ઊંટ, તેણે કોઈને આપેલું વચન ભૂલી ગયું હશે.